સામાન્ય રીતથી રીસાઇકલ બિનમાં ડિલીટ કરેલી ફાઇલને પછી લાવવી થોડી મુશ્કેલ છે. નો ઉપયોગ કોઈ ફાઇલને સિલેક્ટ કરીને રાઇટ ક્લિક કરશો તો છેલ્લો ઓપ્શન તમને દેખાશે. ની મદદથી તમે કોઈ ફાઇલ ક્યારે થઈ હતી અને ક્યારે ડિલીટ થઈ હતી એ જાણવા મળશે. કોઈ ફાઇલનું નામ જાણવા મળશે. ફાઇલ કયા પ્રકારની છે અને કેટલા ની છે એ પણ જાણવા મળશે. ને રિસ્ટોર કરવાનો પણ ઓપ્શન મળશે. રીસાઇકલ બિનમાં કોઈ ફાઇલ પર ડબલ ક્લિક કરશો તો તમે તે ફાઇલની માં પહોચી જશો. ઉપર બતાવેલા ફોર ઓપ્શન રીસાઇકલ બિનના મુખ્ય ઓપ્શન છે અને આના વિશે તમને જાણકારી હોવી જોઈએ જેથી તમે કમ્પ્યુટર વિશે વધારે જાણી શકો છો. આશા છે કે રીસાઇકલ બિન એટલે શું અને તેનો ઉપયોગ કેવી રીતે કરવાનો? એના વિશે તમને જરૂર ખ્યાલ આવી ગયો હશે અને જો તમારો કોઈ હજુ સવાલ હોય તો નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો જેથી અમે તમારી મદદ કરી શકીશું. હાર્ડવેર અને સોફ્ટવેર વચ્ચેનો તફાવત. હાર્ડવેર એટલે કમ્પ્યુટરના એવા ભાગો જે આપણને ભૌતિક સ્વરૂપમાં જોવા મળે છે અને જેને આપણે ભૌતિક સ્વરૂપમાં પકડી શકીએ છીએ. ઉદાહરણ તરીકે સીપીયુ કેબિનેટ, મધરબોર્ડ, માઉસ, કીબોર્ડ, મોનીટર, સ્પીકર વગેરેને આપણે પકડી શકીએ છીએ. એક કમ્પ્યુટરમાં આવા અલગ-અલગ હાર્ડવેર ભાગો હોય છે અને આ અલગ-અલગ હાર્ડવેર ભાગો એક બીજા સાથે જ્યારે જોડાય છે ત્યારે એક કમ્પ્યુટર બરાબર રીતે ચાલુ થાય છે. સોફ્ટવેર એટલે કમ્પ્યુટરમાં એવા પ્રોગ્રામ અથવા સૂચનાઓનો સમૂહ જેમાં એક કમ્પ્યુટરને ક્યારે શું કરવું કે શું ન કરવું, જો યુઝર આ બટન દબાવે ત્યારે શું કરવું, જો યુઝરને વિડિયો જોવા છે તો તેને કેવી રીતે વિડિયો બતાવવા, જો યુઝરને યુટ્યુબ ખોલવું છે તો કેવી રીતે ઇન્ટરનેટ કનેક્શન કરવું એવા વગેરે સોફ્ટવેરમાં હોય છે. કમ્પ્યુટરને તમે ચાલુ કરો ત્યારથી કમ્પ્યુટરને બંધ કરતાં સુધીનું કામ કમ્પ્યુટરમાં આવેલા વિવિધ સોફ્ટવેર કરે છે. હાર્ડવેર અને સોફ્ટવેર વચ્ચેનો તફાવત. હાર્ડવેર કમ્પ્યુટરના ભૌતિક અલગ-અલગ ભાગો હોય છે જેની મદદથી એક કમ્પ્યુટર ચાલુ થાય છે. સોફ્ટવેર કમ્પ્યુટરની અંદર આવેલા વિવિધ પ્રોગ્રામોનો સમૂહ હોય છે જે કમ્પ્યુટર ચાલુ થયા બાદ શું કરવું અને કેવી રીતે કરવું તેના માટે હોય છે. હાર્ડવેરને બનાવવા માટે ઇલેક્ટ્રોનિક્સ અથવા તેના જેવા અન્ય મટિરિયલનો ઉપયોગ કરવામાં આવે છે. સોફ્ટવેરને બનાવવા માટે વિવિધ કમ્પ્યુટર પ્રોગ્રામિંગ ભાષાઓનો ઉપયોગ થાય છે જેમાં કોડિંગ કરીને સોફ્ટવેર બને છે. હાર્ડવેરને આપણે પકડી શકીએ છીએ અને પોતાની આંખો સામે જોઈ શકીએ છીએ.